અને આપણે જે શોધી રહ્યા છીએ સંપર્કના પ્રકારો છે અથવા શહેરના વિસ્તારો જ્યાં તે અંતર સૌથી મોટું છે કે પછી અમે અમારા ભાગીદારોને કહી શકીએ "અહીં જુઓ. આ સમસ્યા હલ કરો". તે ખરેખર એક પ્રકારની ઉપચાર છે. પોલીસ વડા પાછળ પડી શકે છે કારણ કે ત્યાં પ્રેરણાદાયક કંઈ નથી અમારા જાતિવાદના ઇતિહાસના ચહેરામાં ઉકેલાયેલી સમસ્યા તરીકે. જુઓ, જો મિનીપોલિસમાં સમુદાય તેમના પોલીસ વિભાગને પૂછ્યું નૈતિક નિષ્ફળતા દૂર કરવા માટે પોલીસિંગમાં રેસ, ખાતરી નથી તેઓ કેવી રીતે કરવું તે જાણે છે. પરંતુ જો તેના બદલે સમુદાય કહે, "અરે, તમે ડેટા કહો છો કે તમે મારશો ઘણા બેઘર લોકોને, તમે તે કઠણ કરવા માંગો છો"? તે કંઈક પોલીસ છે. કેવી રીતે કરવું તે શીખી શકો છો. અને તેઓએ કર્યું. તેથી, મિનીઆપોલિસ પીડી અમને જણાવો તેમનો સમુદાય ચિંતિત હતો તેઓ ઘણી વાર બળનો ઉપયોગ કરતા હતા. અને જ્યારે તમે તે ડેટા જુઓ છો, તમે જોશો કે અપ્રમાણસર સંખ્યા તેમની શક્તિના ઉપયોગની ઘટનાઓ તેઓ કોઈકને સામેલ કરે છે જે બેઘર છે, માનસિક તકલીફમાં, પદાર્થ દુરૂપયોગ મુદ્દો છે અથવા ત્રણેયના કેટલાક સંયોજન. તમે અપેક્ષા કરતાં વધુ તે પરિબળો પર આધારિત હું હમણાં જ તે જણાવી રહ્યો હતો. તેથી ત્યાં અંતર છે. હવે પછીનો સવાલ છે "શા માટે"? ઠીક છે, તે બેઘર લોકો બહાર વળે છે ઘણીવાર સેવાઓની જરૂર હોય છે. અને જ્યારે તે સેવાઓ અનુપલબ્ધ હોય, જ્યારે તેઓ તેમના મેડ્સ મેળવી શકતા નથી, આશ્રયસ્થાનમાં તેમનું સ્થળ ગુમાવે છે. વર્તણૂંકમાં વ્યસ્ત રહેવાની સંભાવના વધારે છે તે બોલાવતા લોકોનો અંત આવે છે. જ્યારે ક્રોપસ બતાવાય છે તેઓ વધુ સંભવિત છે દખલનો પ્રતિકાર કરવો ઘણી વાર કારણ કે તેઓ નથી ખરેખર કંઈક ગેરકાયદેસર કર્યું છે. તેઓ શાબ્દિક રીતે ફક્ત બહાર રહે છે. એ હકીકત હતી લોકો કોપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા પદાર્થના દુરૂપયોગની સારવાર કરવી અને પ્રથમ સ્થાને બેઘર. તેથી મિનીઆપોલિસ શહેરને એક રસ્તો મળ્યો સામાજિક સેવાઓ પહોંચાડવા માટે અને શહેર સંસાધનો બેઘર સમુદાયને કોઈએ ક્યારેય પોલીસને બોલાવ્યા તે પહેલાં. અથવા સમસ્યા પગલાના ધંધાનો છે જેમ કે તે લાસ વેગાસમાં હતું. તેમના અધિકારીઓને તાલીમ આપવાની હતી ધીમો શ્વાસ લેવા માટે. તેના બદલે એડ્રેનાલાઇનમાં પરવાનગી આપવા માટે તે સ્થિતિમાં તેને વધારવા માટે. તે ઓકલેન્ડમાં શોધે છે. તે લોકો ખેંચીને છે સાન જોસમાં કારની બહાર.